જીતેન્દ્રસિંહે કહ્યું કે સરકાર આવી કોઈ દરખાસ્ત ઉપર વિચાર નથી કરી રહી તેઓ પંચાણું વર્ષના હતા આ ઉપરાંત ગુજરાત સમાચારમાં બહુ જ લોકપ્રિય નીવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી નવી પેઢીને ના સર્જક પણ તેઓ હતા બિહારની વાલ્મીકીનગર લોકસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી પણ આજે થશે અને કપરાડા બેઠકોનો સમાવેશ થાય છે આ યોજનાઓમાં સારનાથ ખાતે લાઈટ અને સાઉન્ડ શો લાલબહાદુર શાસ્ત્રી હોસ્પિટલનું આધુનિકીકરણ માળખાકીય સુવિધાની યોજના ગૌ સંવર્ધન માટે એક સો બે ગૌ આશ્રય કેન્દ્રો બીજ સંરક્ષણ માટેના ગોદામોની યોજનાનો સમાવેશ થાય છે ચૂંટણી પંચે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને મતગણતરીની કામગીરી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ફાધર વાલેસના અવસાન બદલ શોકની લાગણી વ્યકત કરી છે અને તેમને ભાવભીની અંજલિ આપી છે જોકે એ જે શહેરો અને નગરોમાં હવાની ગુણવત્તા મધ્યમ કક્ષાની હોય ત્યાં ગ્રીન ફટાકડા વેચાણને મંજુરી આપી છે બિહાર વિધાનસભાની ચૂંટણી અઠ્ઠાવીસ ઓક્ટોબર ત્રીજી તથા સાતમી નવેમ્બર એમ ત્રણ તબક્કામાં યોજાઈ હતી વર્ષ બે હજાર પાંચ માં ભારતને સંગઠનના નીરિક્ષક દેશોનો દરજ્જો અપાયો હતો અને વર્ષ બે હજાર સત્તર થી ભારતને સંગઠનનું સભ્યપદ અપાયું હતું મૂળ સ્પેનના અને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ફાધર વાલેસ લેટિન સ્પેનિશ જર્મની ફ્રેન્ચ ઇટાલિયન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હતા આવકવેરા ટ્રીબ્યુનલના અદ્યતન સંકુલ માટે ઓડિશા સરકારે આવકવેરા ઓડિશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાના કટક ખાતે બંધાયેલા આવકવેરા એપેલેટ ટ્રીબ્યુનલના અદ્યતન સુવિધાવાળા સંકુલનું વીડિયોના માધ્યમથી આજે ઉદઘાટન કરશે દરમિયાન એ અર્જુન રામપાલના કેટલાંક ઇલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યા છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત દસ રાજ્યોમાં કોલ્ડ ચેઇન અને વેલ્યુ એડિશન યોજના હેઠળ એકવીસ પ્રોજેક્ટોને મંજુરી આપી છે મતોની ગણતરી માટે કુલ પચીસ ખંડો માં સત્તાણું ટેબલો ઉપર ત્રણ સો વીસ કર્મચારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દિલ્હી અને રાણી યોગ્ય અંતર જાળવવા એક મતગણતરી કેન્દ્રમાં મતગણતરી ટેબલની સંખ્યા ઘટાડવામાં આવી છે આમ છતાં દિવાળી છઠ્ઠ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી વખતે આ પ્રકારના ફટાકડા બે કલાક સુધી ફોડવા દેવાની મંજુરી આપવાનો નિર્દેશ આપ્યો છે ટ્રીબ્યુનલના કટક એકમના કાર્યક્ષેત્રમાં સમગ્ર ઓડિશાનો સમાવેશ કરાયો છે અંગ્રેજી ભાષામાં સિત્તેર થી વધુ અને ગુજરાતી ભાષામાં પચીસથી વધુ પુસ્તકો તેમણે લખ્યા છે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એક હજાર નવ સો સાઈઠ થી સુધી ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદીમીર પુટિનના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠક પ્રથમવાર વીડિયોના માધ્યમથી યોજાશે ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલા ઉત્કૃષ્ઠ યોગદાન બદલ ફાધર વાલેસને ઓગણીસો છાછઠ માં કુમાર ચંદ્રક અને ઓગણીસો અથ્યોતીમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા ફાધર વાલેસ મૂળ સ્પેનિશ અને સવાયા ગુજરાતી એવા ફાધર વાલેસનું રવિવારે રાત્રે સ્પેનમાં અવસાન થયું છે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે સંગઠનના દ્વારા વિવિધ ક્ષેત્રે કરાયેલી કામગીરીમાં ભાગ લીધો છે પોલીસ જવાનો માટે બરાક અને પ્રવાસન સ્થળોના વિકાસ સહિત અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે।